સાંસદોને ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ વિભાગ બંગલા ફાળવે છે, તો જોઈએ સાંસદોને મળતા બંગલા કઈ કઈ પ્રકારના હોય છે, અને તેમાં કેવી સુવિધા હોય છે. સોમવારે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ, તેમને તેમનું જૂનું નિવાસસ્થાન પાછું મળ્યું. નિવાસસ્થાન પરત મળવા પર મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આખો દેશ મારું ઘર છે. તમને જણાવી દઈએ કે, મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી હતી. આ પછી લોકસભા હાઉસિંગ કમિટીએ તેમને સત્તાવાર નિવાસ ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. રાહુલ ગાંધીએ એપ્રિલ મહિનામાં બાર તુગલક લેન ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ ઘર રાહુલ ગાંધીને વર્ષ બે હજાર ચારમાં ફાળવવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી લગભગ ઓગણીષ વર્ષથી આ આવાસમાં રહેતા હતા. સરકારી આવાસ કેવી રીતે મળે છે? આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય હેઠળ ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ નામનો વિભાગ બનાવવામાં આવ્યો હતો. આ વિભાગ સાંસદોને સરકારી બંગલા ફાળવે છે. ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન એક્ટ હેઠળ બંગલા ફાળવે છે, ટૂંકમાં એક્ટના નિયમ હેઠળ બંગલા આપવામાં આવે છે. આ નિયમમાં દર્શાવેલ શરતો અને નિયમો અનુસાર દિલ્હી અને બહારના ઘણા સ્થળો પર સરકારી લોકોને એટલે સાંસદોને બંગલા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સિવાય, લોકસભા અને રાજ્યસભાની હાઉસિંગ કમિટી સાંસદોને આવાસ પ્રદાન કરવાની પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. લોકસભા પૂલમાં કુલ પાંચસો સત્તર ગૃહો છે, લોકસભા પૂલમાં કુલ પાંચસો સત્તર ઘરો છે, જેમાં બંગલાથી માંડીને નાના ફ્લેટ અને હોસ્ટેલનો સમાવેશ થાય છે. ગૃહ સમિતિ આવાસ ફાળવવા માટે જવાબદાર છે. હાઉસ કમિટી સાંસદો દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજીઓના આધારે બંગલા ફાળવે છે. લોકસભા પૂલ માટે ઉપલબ્ધ રહેણાંક આવાસમાં એકસો ઓગણસાહિઠ બંગલા, સાળતરીસ ટ્વીન ફ્લેટ, એકસો ત્રાણુ સિંગલ ફ્લેટ, છન્નું બહુમાળી ફ્લેટ અને સિંગલ હાઉસના બત્રીસ યુનિટનો સમાવેશ થાય છે. બંગલો સૌથી વધુ વર્ગ ફૂટનો આવાસ ગણાય છે. આ શ્રેણીનો બંગલો લગભગ ત્રણ એકરમાં ફેલાયેલો હોય છે. આ બંગલોની મુખ્ય ઇમારતમાં પાંચ બેડરૂમ, એક હોલ, એક મોટો ડાઇનિંગ રૂમ અને એક સ્ટડી રૂમ હોય છે. આ સિવાય રેસિડેન્શિયલ કેમ્પસમાં એક લિવિંગ રૂમ અને નોકર ક્વાર્ટર પણ હોય છે. કેબિનેટ મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, પૂર્વ વડા પ્રધાનો રાષ્ટ્રપતિઓ/ઉપ-રાષ્ટ્રપતિઓ અને વરિષ્ઠ સંસદસભ્યોને ફાળવવામાં આવે છે. જનપથ ત્યાગરાજ માર્ગ, કૃષ્ણ મેન માર્ગ, અકબર રોડ, સફદરજંગ રોડ, મોતીલાલ નહેરુ માર્ગ અને તુગલક રોડ પર સ્થિત છે.